પટેલે જણાવ્યું હતું કે અજિત પવાર અને તેઓ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે જ્યારે ભાજપ દ્વારા એનડીએના દળોની બેઠક બોલાવવામાં આવી છે. કાનૂની લડાઈ પર ચર્ચા એનસીપીના નેતાઓની ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતમાં આગળની કાનૂની લડાઈ અંગે ચર્ચા થઈ હતી. જે પછી શિવસેના શિંદે જૂથની જેમ અજિત પવાર જૂથનો કેસ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે લડી શકે છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટ અને ચૂંટણી પંચમાં શરદ પવાર જૂથનું પ્રતિનિધિત્વ કરશે. અજિત પવાર જૂથ એમ કહી રહ્યું છે કે તેમની પાસે પક્ષના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો છે, તેમને પક્ષ અને ચૂંટણી ચિહ્ન પર અધિકાર છે. રાજધાનીમાં યમુનાનું જળ સ્તર રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે યમુના નદીનું પાણી આઈટીઓ, રાજઘાટ અને લાલ કિલ્લા તરફ આગળ વધી રહ્યું છે. યમુના નદીને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોને દિલ્હી સરકારે ખાલી કરાવી દીધા છે. યમુનાના જળસ્તરને જોતા દિલ્હી મેટ્રોએ નદી પર પોતાની ટ્રેનોની સ્પીડ ઓછી કરવાનો નિર્ણય કર્યો છે અને યમુના બેંક મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે દેશની રાજધાની નવી દિલ્હીમાં આવી સ્થિતિ કેમ ઉભી થઈ. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિને કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે રાજધાનીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ રવિવાર સુધી બંધ રહેશે. આવશ્યક ફરજો સિવાયના તમામ સરકારી અધિકારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ખાનગી કંપનીઓ માટે કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવા માટેની સલાહ પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.